તથા સૌથી વધુ ઘનત્વવાળા વાદળો હોવાથી વિમાનનુ તેની સાથે ઘર્ષણ થાય છે અને વિસ્ફોટ પણ થાય છે તથા મજબુત ચુંબકિય શક્તિને કારણે જહાજ કે વિમાન સમુદ્રમાં ખેચાઇ જાય છે. પરંતુ આ દાવાનુ ખંડન કરવામાં આવ્યુ કેમ કે આજુબાજુમાં વસેલા ટાપુઓ પર વાતાવરણમાં કોઇ ફેરફાર જોવા નથી મળ્યો કે ના તો ગુરુત્વાકર્ષણ બળ કે ચુંબકિય બળની અસર જોવા મળે. જો સમુદ્રમાં એકસો સિત્તેર માઇલ પ્રતિ સેકન્ડની ઝડપે પવન ફુંકાતો હોય તો તેની અસર તેના આજુબાજુના ટાપુ પર થવી જ જોઇએ. બર્મુડા ટ્રાયેન્ગલ કોઇ દેવી શક્તિ નહિ પણ એક સંજોગ છે કે એક અફવા છે એવા કેટલાય તથ્યો મે એકત્રિત કર્યા છે, આવો તેનો પણ અભ્યાસ કરીએ. લોરિસ ડેવિડ કુસ્ચે એ આ ઘટનાઓ પર અભ્યાસ કર્યો હતો. તેઓએ કહ્યુ કે, ઘણીવાર અજાણ્યે જ બનેલી ઘટનાઓને પણ આ ટ્રાયેન્ગલ સાથે જોડીને રહસ્યો ઉભા કરવામાં આવે છે. સમુદ્રના અન્ય ભાગમા બનેલ દુર્ઘટનાના પ્રમાણમાં અહિની દુર્ઘટનાની સંખ્યામાં વધુ અંતર નથી. ઘણી જ ઘટનાઓમાં દરીયાઇ તોફાનોને લીધે દસ પંદર દિવસ જહાજો મોડા પહોચે તો, તે પંદર દિવસ દરમ્યાન એવી વાતો ફેલાવવામાં આવે કે આ ટ્રાયેન્ગલનો પ્રભાવ છે પણ એ જહાજ પરત ફરે છે. ત્યા સુધીમાં આ વાત તો વિશ્વમાં પહોચી ગઇ હોય છે. આ ઉપરાંત એક સામાન્ય દાવો એવો પણ છે કે, આ ટ્રાયેન્ગલ ભુભાગથી ઘણો જ નજીક છે. પુએર્ટો રિકો, બહામાસ, બર્મુડા વગેરે વિશાળ માનવવસ્તી ધરાવે છે. અહિથી ક્યારેય કોઇ વ્યક્તિ કે વસ્તુ ક્યારેય ગુમ થઈ નથી. દ્રિતિય વિશ્વયુધ્ધ દરમ્યાન અને યુધ્ધ જહાજો પર છાપામારી કરવામાં આવતી હતી. તે જહાજોનુ શુ થયુ એ આજે પણ ખ્યાલ નથી. અનેક લોકો આ ઘટનાને પણ આ ત્રિભંગ સાથે જોડી દે છે. આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવેલો છે કે, ઘણી વખત દરીયાઇ સાહસિકો પોતાના શક્તિ બહારના સાહસો કરવાને કારણે એટલે કે જડતાને કારણે પણ આવી ઘટનાઓમાં સંપડાઇ જતા હોય છે. કોઇ વિશાળ ભમરીઓમાં સંપડાઇ ગયા પછી તેનો કાટમાળ કે વ્યક્તિ વર્ષો સુધી કિનારે નથી આવી શક્તો અને તેને પણ આ ત્રિકોણ સાથે જોડવામાં આવે છે. સમુદ્રી ચાંચીયાઓ દ્વારા ઘણી વખત જહાજોને બંધક બનાવવામાં આવે છે. ત્યારે પણ આ ઘટના સાથે જોડી દેવામાં આવે છે. સન ઓગણીસો પંચાવનમાં થયેલ હવાઇ જહાજોના ગુમ થવાની ઘટના ને બાદ કરતા કોઇ દુર્ઘટનાઓનુ જેમા જહાજ અને વિમાન ગુમ થયા હોય તેવી બાબતોનુ કોઇ નક્કર પુરાવો આજ સુધી મળ્યો જ નથી. બે હજાર તેરમાં એક સંસ્થા એ સમુદ્રીયાત્રીઓ માટે સૌથી ભયાનક જગ્યા જાહેર કરેલી તેમાં આ જગ્યાનો ઉલ્લેખન નથી .